રાજ્ય યુનિટી કુલ ફાળવણીમાંથી ત્રણ ટકા ભંડોળ વહીવટી ખર્ચ માટે હતું. ઓડિટ દરમિયાન, એનએસપી માટે ફાળવેલ ભંડોળમાંથી મંત્રાલય અને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ભંડોળને ડાયવર્ઝન કરવાના કિસ્સા નોંધયા હતા," તે જણાવ્યું હતું કે "ગ્રામીણ વિકાસ મંત્રાલયે જાન્યુઆરી બે હજાર સત્તરમાં મંત્રાલયના તમામ કાર્યક્રમો અને યોજનાઓને યોગ્ય પ્રચાર આપવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોર્ડિંગ્સ દ્વારા પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. હોર્ડિંગ્સ દ્વારા પ્રચાર ઝુંબેશ માટે, જેમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના દરેક રાજધાની શહેરમાં દસ હોર્ડિંગ્સની મર્યાદા હતી. પ્રચાર ઝુંબેશ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં હાથ ધરવામાં આવનાર હતી. આ ઝુંબેશ માટેના ભંડોળ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું અને સક્ષમ અધિકારી દ્વારા મંજૂર કરવામાં આવે છે જે સમાન હેડ હેઠળ ખર્ચવામાં આવશે; જો કે, ઓડિટમાં જણાયું હતું કે ખરેખર ભંડોળ સામાજિક સુરક્ષા કલ્યાણ- યોજનાઓમાંથી ખર્ચવામાં આવ્યું હતું," તે જણાવ્યું હતું "જો કે, વર્ક ઓર્ડરમાં માત્ર યોજનાઓની જાહેરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને કોઈ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. વધુમાં, ઝુંબેશ ડી ડીએવીપી દ્વારા વિભાગને સૂચના હેઠળ હાથ ધરવામાં આવશે; જો કે, કામના અમલીકરણની પુષ્ટિ કર્યા વિના ચૂકવણી કરવામાં આવી હતી," તે જણાવ્યું હતું કે "તેથી, એનએસપી હેઠળ આયોજિત પ્રવૃત્તિઓ કલ્પના મુજબ હાથ ધરવામાં આવી ન હતી અને મંત્રાલયની અન્ય યોજનાઓના સંદર્ભમાં ઝુંબેશ માટે સંભવિત લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી શકી નથી તેમ છતાં પ્રવૃત્તિઓ માટે ભંડોળ નિર્ધારિત કરવામાં આવ્યું હતું," અહેવાલ મુજબ, એ તેના જવાબમાં જણાવ્યું હતું કે આ મામલો વિભાગ સાથે ઉઠાવવામાં આવ્યો હતો. તેના બ્રેડવિનનું મૃત્યુ, અને અન્નપૂર્ણા યોજના, જે વૃદ્ધોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે જેઓ હેઠળ આવરી લેવામાં આવતા નથી.બિહારમાં હેઠળ ભંડોળની ઉપલબ્ધતા ન હોવાને કારણે કેન્દ્ર અને રાજ્યનો હિસ્સા હેઠળ પેન્શન ચુકવ ચૂકવવા માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.